ડાઇનિંગ રૂમમાંથી ક્રોકરીનો એક સુંદર જૂનો સેટ પસંદ કરો, તેજસ્વી રંગછટા અને વોઇલાનો ઉપયોગ કરીને કેટલાક સુંદર મોટિફ્સ દોરો! તમારી સામે પેઇન્ટિંગ વિકલ્પ માટે એક ભવ્ય ફ્લાવર પોટ ડિઝાઇન છે. જૂની ક્રોકરીને ગાર્ડન પોટ્સ તરીકે રિફેશન કરી શકાય છે. સોફ્ટ પેસ્ટલ શેડ્સ માટે પસંદ કરો પેઇન્ટિંગ માટે સૌથી સરળ ફ્લાવર પોટ્સની ડિઝાઇનમાં નરમ અને મ્યૂટ પેસ્ટલ શેડ્સનો ઉપયોગ શામેલ છે. પાવડર ગુલાબી, પિસ્તા લીલો અથવા બેબી બ્લુ જેવા સરળ રંગો પસંદ કરો. પેઇન્ટિંગ સ્કીમને શક્ય તેટલી સરળ રાખવાનો પ્રયાસ કરો અને પોટ પર કોઈપણ વિસ્તૃત કોતરણી અથવા પેટર્ન ટાળો. આ બગીચાના પોટ્સને ઉત્તમ અને અત્યાધુનિક દેખાવ આપે છે. તે બધા કાળા રંગ કરો જો તમે તમારા બગીચાની રંગ યોજનામાં થોડો કોન્ટ્રાસ્ટ ઉમેરવા માંગતા હો, તો બગીચાના પોટ્સને જેટ બ્લેક શેડથી રંગાવો. આ હરિયાળીની વચ્ચે પોટ્સને અલગ રહેવામાં મદદ કરે છે અને તમારા બગીચામાં રહસ્યનું એક તત્વ ઉમેરે છે. તમારા બગીચાની સજાવટમાં થોડો સ્વાદ ઉમેરવા માટે કાળા રંગના ચળકતા શેડનો ઉપયોગ કરવાનું પસંદ કરો. કાળો તમારા બગીચાના પોટ્સ માટે અદભૂત રંગ વિકલ્પ છે. ઓછામાં ઓછા માટીના વાસણો સાથે તેને સરળ રાખો ઘણા છોડના માતાપિતા વારંવાર આશ્ચર્ય કરે છે કે ફૂલના પોટને યોગ્ય રીતે કેવી રીતે રંગવું. પુસ્તકમાં સૌથી સરળ યુક્તિ છે કે ઓછામાં ઓછી અથવા કોઈ ડિઝાઇન વગરના પરંપરાગત માટીના વાસણો માટે જવું. પોટ્સના ગામઠી વાઇબને વધારવા માટે તમે ચળકતા બ્રાઉન પેઇન્ટનો મૂળભૂત કોટ ઉમેરી શકો છો. પરંપરાગત માટીના વાસણો પરની સરળ કોતરણી ગામઠી વાતાવરણમાં ઉમેરો કરે છે. એક અત્યાધુનિક અવશેષ વાઇબ માટે જાઓ તમારા બગીચાને ભૂતકાળનો સ્પર્શ આપવો લાગે તેટલું મુશ્કેલ નથી. તમે બગીચાના પોટ્સનો યોગ્ય પ્રકાર પસંદ કરીને પ્રાપ્ત કરી શકો છો. મોટા ગાર્ડન પોટ ડિઝાઇનમાં ફક્ત કેટલીક અલંકૃત કોતરણી ઉમેરો અને વિન્ટેજ ચાર્મ લાવવા માટે તેને સફેદ અથવા ક્રીમ જેવા અત્યાધુનિક શેડ્સમાં રંગી દો. તમે તમારા બગીચાના પોટને જૂના અવશેષો જેવા દેખાવા માટે ડિઝાઇન કરી શકો છો. સરળ આડી પટ્ટાઓ પસંદ કરો તમારા ફ્લાવર પોટ ડિઝાઇન આઇડિયા માટે અન્ય સરળ ડિઝાઇન મૂળભૂત આડી પટ્ટાઓનો સમાવેશ હોઈ શકે છે. મહત્તમ પ્રભાવ બનાવવા માટે ડિઝાઇન વિચાર માટે પથ્થરના બગીચાના પોટ્સનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. બે-ટોન રંગ યોજના આ ડિઝાઇન શૈલી સાથે શ્રેષ્ઠ કાર્ય કરે છે. સફેદ અને રાખોડી જેવા ભવ્ય રંગ સંયોજનો માટે જાઓ. એક સુંદર મોઝેક પૂર્ણાહુતિ માટે પસંદ કરો એક ખૂબસૂરત ફ્લાવર પોટ ડિઝાઇન શોધી રહ્યાં છો જે તમારા બગીચાને તરત ચમકાવી શકે?